એક સમયે કબૂતરોનું એક ટોળું,તેના રાજા સાથે તે ખોરાકની શોધમાં અહીં અને ત્યાં ઉડતું હતું. એક દિવસ તે બધા કબૂતરો જાળીમાં ફસાઈ ગયા. તેણે જાળમાંથી બહાર નીકળવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે સફળ થયા નહીં. કબૂતરોના રાજાના મનમાં એક વિચાર આવ્યો. તેણે તમામ કબૂતરોને કહ્યું કે જો તેઓ બધા એક સાથે ઉડવા માટે બળ લાગુ કરે તો તેઓ જાળી સાથે ઉડી શકે છે. બધા કબૂતરોએ તેની આજ્ઞા પાળી અને પૂરી તાકાતથી જાળી લીધી અને ઉડાન ભરી. જ્યારે શિકારીએ કબૂતરોને જાળ સાથે ઉડતા જોયા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. ઉડતા કબૂતરો ઉંદર પાસે આવ્યા. ઉંદર તેનો વિશ્વાસુ મિત્ર હતો. ઉંદરે તરત જ તેના દાંત વડે જાળી કાપી અને તમામ કબૂતરો મુક્ત થયા. એક ભરૂંડ નામનું બે માથાવાળું પક્ષી હતું. એક દિવસ તેને સુવર્ણ ફળ મળ્યું. પ્રથમ માથાએ તે સોનેરી ફળ ખાવાનું શરૂ કર્યું. તેને તે ફળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું, બીજા માથા એ કહ્યું, "મને પણ આ ફળ ખાવા દો. પહેલા માથા એ જવાબ આપ્યો, "અમારું એક જ પેટ છે. જે કોઈ માથું ખાય છે, તે પેટમાં જશે. એક દિવસ પછી, બીજા માથાને ઝેરી ફળો સાથે એક વૃક્ષ મળ્યું. તેણે તે ઝેરી ફળ લીધું અને પેલા માથા ને કહ્યું, "હું આ ઝેરી ફળ ખાઈશ અને તારો બદલો લઈશ. " પહેલું માથું બૂમ પાડવા લાગ્યું, "અરે, આ ફળ ન ખાઓ. જો તમે આ ફળ ખાશો તો અમે બંને મરી જઈશું. જો કે, બીજા માથાએ તેની તરફ ધ્યાન ન આપ્યું અને ઝેરી ફળ ખાધું. આમ, બંનેએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. એક દિવસ, રાજા અકબરે તેના દરબારમાં એક સવાલ પૂછ્યો, જેણે દરબારમાં બધા ને મૂંઝવણમાં મૂકી ગયો. જ્યારે બધાએ જવાબ શોધવા પ્રયત્ન કર્યો, બીરબલ અંદર ગયો અને પૂછ્યું કે આ મામલો શું છે. તેઓ તેમને આ પ્રશ્નનો પુનરાવર્તન કર્યું. સવાલ એ હતો કે, "શહેરમાં કેટલા કાગડાઓ છે? " બીરબલ તરત હસ્યો અને અકબર પાસે ગયો. તેણે જવાબ જાહેર કર્યો; તેણે કહ્યું કે શહેરમાં એકવીસ હજાર, પાંચસો વીસ કાગડાઓ હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે જવાબ કેવી રીતે જાણે છે, ત્યારે બીરબલે જવાબ આપ્યો, "તમારા માણસોને કાગડાની સંખ્યા ગણવા કહો. જો ત્યાં વધુ હોય, તો કાગડાઓના સંબંધીઓ નજીકના શહેરો થી તેમની મુલાકાત લેવા આવ્યા હોવા જોઈએ. જો ત્યાં ઓછા લોકો હોય, તો પછી અમારા શહેરના કાગડાઓ શહેરની બહાર રહેતા તેમના સંબંધીઓ ને મળવા ગયા હોવા જોઈએ. જવાબથી ખુશ થઈને અકબરે બીરબલને રૂબી અને મોતીની ચેન દય ને સન્માનિત કર્યો.